તેણે બિરબલને બોલાવ્યો અને કહ્યું: બિરબલ, હું જાણું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે, ખરું ને? બિરબલ રાજાની વાત સમજી ન શક્યો, પણ જવાબ આપ્યો: હા, નામદાર. રાજા બોલ્યો: તારે મારા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે. તેમને ત્યાં ખૂબ એકલું લાગે છે. બિરબલ તરત સમજી ગયો કે આ કોઈ કાવતરૂં છે. તેણે નમ્રતાથી કહ્યું: જહાંપનાહ, હું તૈયાર છું, પણ મને થોડી તૈયારી માટે સમય જોઈએ.અકબર રાજી થયો: તું આટલું મોટું કામ કરવા તૈયાર થયો છે, તો હું તને એક અઠવાડિયાનો સમય આપું છું. બિરબલનો ઉપાય બિરબલ ચિંતામાં પડી ગયો. તેણે ઘણો વિચાર કર્યો અને એક ઉપાય શોધી કાઢ્યો. તેણે પોતાના ઘરના નજીક એક ઊંડો ખાડો ખોદ્યો-જે તેની કબર તરીકે કામ આવી શકે. ખાડામાંથી એક ભોંયરું બનાવ્યું જે તેના ઘરના રૂમમાં ખૂલે છે. પછી તે દરબારમાં ગયો અને રાજાને કહ્યું: હજૂર, હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું, પણ મારી બે શરતો છે. અકબર ખુશ થઈ ગયો અને પૂછ્યું: કઈ શરતો છે? જલદી કહો. બિરબલે કહ્યું: પહેલી શરત- મને મારા ઘર પાસે જ દફનાવવો. બીજી-મને જીવતો દફનાવવો, જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાને આનંદથી સાથ આપી શકું.અકબરને શરતો યોગ્ય લાગી. બીજે દિવસે બિરબલને તેના ઘેરના ખાડામાં જીવતો દફનાવાયો. ભોંયરા મારફતે તે ઘેરમાં પાછો આવી ગયો. છ મહિના પછી.. છ મહિના સુધી બિરબલ ઘરમાં જ રહ્યો. દાઢી અને વાળ વધાર્યા. રાત્રે છુપા વેશે રાજ્યમાં ફરતો રહ્યો અને આખું કાવતરૂં કોણે ઘડ્યું તે શોધી કાઢ્યું. છ મહિના પછી, વેરવિખેર વાળ અને લાંબી દાઢી સાથે તે દરબારમાં પહોંચ્યો. કોઈએ તેને ઓળખ્યું નહીં. પરવાનગી લઈને અંદર ગયો અને રાજાને ઓળખ આપી. રાજા આશ્ચર્યથી બોલી ઉઠ્યો: બિરબલ! તું ક્યાંથી આવ્યો? તું તો સ્વર્ગમાં ગયો હતો ને? બિરબલ બોલ્યો: હા, નામદાર. હું તમારા પિતાજી સાથે જ હતો. તેઓ મારી સેવાથી ખૂબ ખુશ થયા અને મને અહીં આવવાની રજા આપી. અકબર ઉત્સુક થયો: તેમણે મારા માટે કોઈ સંદેશો મોકલ્યો છે? બિરબલ બોલ્યો: હા, જહાંપનાહ. તેમણે કહ્યું કે સ્વર્ગમાં બહુ ઓછા હજામો જાય છે. તમે મારી દાઢી અને વાળ જોઈને સમજી જશો કે ત્યાં હજામની કેટલી તકલીફ છે. તેથી તેમણે કહ્યું છે - 'અકબરની હજામત કરતો હોય તે હજામને તાત્કાલિક સ્વર્ગમાં મોકલો.અંતે..અકબર બધું સમજી ગયો. તેણે બિરબલની ચતુરાઈ અને